હવે તમારા કમ્પ્યુટરમાં જો વિન્ડોઝ સેવન છે તો તેમાં વિન્ડોઝ ડિસ્ક ઇમેજ બર્નર હશે. તેના દ્વારા તમે આ ફાઈલ માં બર્ન કરી દો અથવા તમે બીજા કોઈ પણ સોફ્ટવેર જેમ કે નેરો દ્વારા પણ બર્ન કરી શકો છો. હવે જ્યારે તમારી બર્ન થઈ જાય પછી તેને કમ્પ્યુટરમાંથી કરી દો. હવે તમે તમારા કમ્પ્યુટરના લોગીન પાસવર્ડ ભૂલી ગયા છો અને જો તમે નવા પાસવર્ડ રાખવા માંગો છો તો તે કમ્પ્યુટરમાં તમે બનાવેલી એન્ટર કરી દો. હવે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો અને ના સેટિંગમાં જવાનું રહેશે. ના સેટિંગમાં આવી ગયા પછી તમારે બુટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારે બુટ ડીવાઈસને સિલેક્ટ કરવાનું છે અને એન્ટર દબાવાનું છે. હવે થોડા સમય માટે તમારું કમ્પ્યુટર રિસ્ટાર્ટ થશે અને તમારા કમ્પ્યુટરના લોગીન પાસવર્ડ ને તોડી નાખશે. હવે તમારી સામે વિન્ડોઝ લોગીન ઓપ્શનની સ્ક્રિન આવી જશે. હવે તમારે આ કમ્પ્યુટરમાં પાસવર્ડ એન્ટર નથી કરવાના તેની બાજુમાં આપેલા એરા પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારું કમ્પ્યુટર અનલોક થઈ ગયું હશે. હવે તમારે કમ્પ્યુટરમાંથી ને દૂર કરી દેવાની છે અને આ કોઈપણ કમ્પ્યુટરના લોગીન પાસવર્ડને તોડી શકે છે. મિત્રો આ જાણકારી માત્ર ને માત્ર નોલેજ વધે અને ક્યારેક પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો મદદ મળે એ હેતુથી આપવામાં આવી છે આનો ખોટો ઉપયોગ હાનિકારક છે અને ગેરકાનૂની છે. તમે આનો ઉપયોગ બીજાના કમ્પ્યુટરને અનલોક કરીને ડેટાને ઍક્સેસ કરવા માટે ના કરી શકો. જો તમે આવું કરો છો તો તેના માટે આ બ્લોગ કે આના લેખક જવાબદાર નથી. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? આ રસપ્રદ માહિતી બીજા જોડે જરૂર શેયર કરજો. આવી જ માહિતી અમે લોકો લઈને આવતા રહીએ છીએ તો આ બ્લોગને ફોલો કરવાનું ના ભુલતા. અમારી અન્ય પોસ્ટ- પોતાના મોબાઇલમાં કેટલા રેમ છે એ કઈ રીતે જાણવું? ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું? વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે કરવી? લેપટોપ બેટરીને કેવી રીતે કાઢવી અને લગાવવી? ટેલિગ્રામમાં નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવો? મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું? તમે કમ્પ્યુટરનો ઉપયોગ જરૂર કરતાં હશો તો ઘણી વખત તેનું માઉસ ખરાબ થઈ જતું હોય છે અને તે કામ નથી કરતું હોય અને લેપટોપમાં પણ આવી જ સમસ્યા ઘણી વખત તમને જોવા મળે છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઇલને જ માઉસ કેવી રીતે બનાવી શકશો.